કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો. જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે. છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે. એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ વીસહજાર પાંદડાં હોય છે. બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે. એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ ત્રણસો છત્રીસ જેટલા ખાડા હોય છે. દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં એક હજાર બસો પચીસ ની સાલમાં તૈયાર કર્યો હતો. દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે છસો ટન કોલસો કાઢવામાં આવે છે. ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં દસ ટકા મહિલાઓ છે. સાધારણ રીતે સરેરાશ વ્યક્તિ દિવસમાં પંદર વખત હસે છે. લૉસ ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તિ વધારે છે. ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી 'પાસ્તા' છે. પાસ્તાના વિવિધ પ્રકારોમાં સૌથી લોકપ્રિય સ્પગેટી છે. અમેરિકાના બજારમાં ચારસો પચાસ કરતા પણ વધુ વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે. દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે. તેની ઊંચાઈ ત્રણસો સાઠ ફૂટ છે. વિશ્વભરની વિશાળ વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું સ્થાન ચોથા નંબરે છે. કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો. બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ એકસો અઠ્ઠયાસી ડેસી મીટર દૂર સુધી સંભળાય છે. લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે, અને એજ સમયે તેઓ બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા. ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય છે જ્યાં વરસે ઝીરો પોઇન્ટ ઝીરો થ્રી ઈંચ વરસાદ પડે છે. આનો મતલબ એમ થાય કે એક કપ કોફીનો ભરાતા એક સદી વહી જાય. એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે લાખ માટીમાંથી માંડ મળે છે. ઑલંપિકના નિયમાનુસાર બેડમિગ્ટનના ફૂલમાં ચૌદ એક સરખા પીંછા લાગેલા હોવા જોઈએ. કાગળનો એક ટુકડો સાત થી વધારે વખત વાળી શકાતો નથી. નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ એકસરખો મીઠો લાગે છે. અંગ્રેજી થાઉસંડ શબ્દમાં એ અક્ષર એક વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત એ અક્ષર આવતો નથી. કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે સોળ ફૂટ દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે. ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી લાઈનવાળા હોય છે. હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે. શ્રી પુ.